ઉપર બતાવ્યા પ્રમાણે, તમે અનન્ય દેખાવ માટે બે અથવા ત્રણ રંગછટા ભેગા કરી શકો છો. એક રંગને કાળો કે સફેદ રાખવાથી મદદ મળી શકે છે. જો તમે તેને સુરક્ષિત રીતે રમવા માંગતા હો, તો કાળો, સફેદ અને સોનાનો વિકલ્પ સારો છે. અથવા તમે લાલ નારંગી, વાદળી, લીલો અથવા પીળો જેવા ઘાટા રંગછટા સાથે પ્રયોગ કરી શકો છો. લાસ્ટિંગ ઇમ્પ્રેશન બનાવવા માટે ગ્રે ગ્રેટ પેઇન્ટ કલર ડાર્ક અથવા સ્ટીલ ગ્રે મેઈન ગેટ પેઈન્ટ કલર દર્શકો પર ઉત્તમ છાપ બનાવી શકે છે જો તમારી પસંદગી કાળો કે સફેદહોય તો મધ્યમ માર્ગ અપનાવો અને રાખોડી પસંદ કરો. ખાસ કરીને મેઈન ગેટ પેઈન્ટ કલર માટે ડાર્ક અથવા સ્ટીલ ગ્રેશ્રેષ્ઠ પસંદગી છે. સુંદર કટ-આઉટ પેટર્નને હાઇલાઇટ કરીને, ઉપર બતાવેલ ગેટ માટે તે કેવી રીતે અજાયબીઓ કરે છે તે જુઓ. યોગ્ય ગેટ પેઇન્ટ કલર ઉપરાંતયોગ્ય સામગ્રી પસંદ કરો તમે વૂડ ગેટ પેઈન્ટ કલર કે આર્યન ગેટ પેઈન્ટ કલર માટે જાવજો બેઝ મટીરીયલ માર્ક સુધી નહીં હોય, તો તમને જોઈતી અસર નહીં મળે. મુખ્યત્વે તમારા શહેરની આબોહવાની પરિસ્થિતિઓ, બજેટ અને જાળવણી ક્ષમતાના આધારે યોગ્ય પ્રકારની સામગ્રી પસંદ કરવી મહત્વપૂર્ણ છે. મુખ્ય દ્વારની સામગ્રી નક્કી કરવામાં તમારા ઘરની બહારની વસ્તુઓ પણ મહત્વનો ભાગ ભજવે છે. ગેટ્સદિવસોમાં ઘણી વિવિધ સામગ્રીમાં આવે છે જેમ કેસ્ટીલ લાકડું એલ્યુમિનિયમ ઘડાયેલા લોખંડમાં વિનાઇલ કાસ્ટ આર્યન પોલીકાર્બેટ દાખલા તરીકે, લાકડાનો મુખ્ય દરવાજો આધુનિક બાહ્ય સાથે સારી રીતેજાય. ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ ગેટ અહીં વધુ સારી પસંદગી છે. બીજી બાજુ, ઘડાયેલ લોખંડનો દરવાજો અથવા ગામઠી લાકડાનો દરવાજો, પરંપરાગત સ્થાપત્ય સાથેના ઘરની આકર્ષકતાને વધારી શકે છે. તેવીરીતે, ઘડાયેલા લોખંડના દરવાજા વધુ ટકાઉ હોય છે અને તેને વધુ જાળવણીની જરૂર પડતી નથી. તેસારી ગુણવત્તાવાળા સ્ટીલ દરવાજા માટે જાય છે. તેઓ ખૂબ જાળવણી વિના વર્ષો સુધી અકબંધ રહે છે. જો કે, લાકડાના દરવાજાને નિયમિત સફાઈ અને પોલિશિંગની જરૂર પડે છે. તેઓ ખાસ કરીને એવા વિસ્તારોમાં ટાળવા જોઈએ જ્યાં પુષ્કળ વરસાદ પડે છે. તેથી, તમારે સામગ્રીને કાળજીપૂર્વક પસંદ કરવાની જરૂર છે. ગેટ પેઇન્ટ કલર જાળવવા માટે ઝડપી ટીપ્સ દરવાજાઓની સફાઈ અને જાળવણી પ્રક્રિયાઓ તેમના નિર્માણમાં વપરાતી સામગ્રીના પ્રકાર પર આધારિત છે. દાખલા તરીકે, ધૂળ અને ગંદકીને દૂર કરવા અને રંગને ચમકવા દેવા માટે ઘડાયેલ લોખંડ, કાસ્ટ આર્યન અને સ્ટીલના દરવાજાને નરમ કપડાથી સાફ કરી શકાય છે. પ્રસંગોપાત, તમેદરવાજા સાફ કરવા માટે ડીટરજન્ટ અને પાણીનો ઉપયોગ કરી શકો છો. સામગ્રી પર સંચિત રસ્ટને સેન્ડપેપરનો ઉપયોગ કરીને સ્ક્રેપ કરી શકાય છે. જ રીતે, એલ્યુમિનિયમ ગેટને સાફ કરવા માટે હળવા